અને અમે તેવા પ્રવેશ પણ કરી શકીએ અન્ય લોકોના ડિજિટલ પ્લેટફોર્મ. તેથી, આની કલ્પના કરો: કલ્પના કરો કે તમે રિસેપ્શનિસ્ટ છો, તમે કામ પર લાંબો દિવસ પસાર કર્યો છે, તમે તમારી કેબ બુક કરો તમારી રાઇડ-હેઇલિંગ એપ્લિકેશનમાં, તે બતાવે છે, અને તમે તમારી કારમાં બેસી જાઓ છો, અને। તમે પાછળ બેઠો છો, અને તમે તમારી એપ્લિકેશન પર મૂકી. અને તમને વાર્તાઓનો સમૂહ મળે છે તમારી રાહ જોવી, તમારી મુસાફરીનો સમય. કલ્પના કરો કે તમે યુવતી છો, પ્રમાણમાં રૂઢિચુસ્ત શહેરમાં લખનૌ જેવું, જે દિલ્હી નજીક આવેલું છે. તમારા માતાપિતાને જાતિયતા શોધી શકાતી નથી તેઓ ખૂબ ગભરાઈ જશે શું તમને લેસ્બિયન સ્ટોરીઝ ગમશે? હિન્દીમાં લખેલું એક ડોલર હેઠળ કિંમતવાળી અને શું હું વાચકો તેમની આસપાસની ઘટનાઓ શું હું તમને તે સમયે રજૂ કરી શકું? જ્યારે સુપ્રીમ કોર્ટ સમલૈંગિકતા કાયદેસર, પછી અમારા હોમ પેજ પર એલજીબીટીક્યુ સંગ્રહ તૈયાર હતો અને જ્યારે ભારતના ટોની મોરીસન અને મહાન લેખક મહાશ્વેતા દેવીનું અવસાન થયું પછી અમારા વાચકોને સમાચાર મળ્યા તેમના દ્વારા લખેલી ટૂંકી વાર્તા મળી ઉદ્દેશ તે હતો કે અમે જીવનના દરેક ક્ષણ માટે સુસંગત બનીએ આપણા વાચકો કોણ છે? મોટાભાગના ત્રીસ વર્ષોથી યુવાન પુરુષો યુવાન છે સલીલ જેવું કોઈ છે, જે શહેરમાં રહે છે ત્યા આધુનિક બુકશોપ નથી. અને તે લગભગ દરરોજ અમારી એપ પર આવે છે. મનોજ જેવું કોઈ છે, જે મોટે ભાગે અમને વાંચે છે લાંબા પ્રવાસ દરમિયાન. અને અહમદ જેવું કોઈ છે, જે આપણા નોનફિક્શનને પ્રેમ કરે છે કે તે એક જ બેઠકમાં વાંચી શકે છે, અને તેની કિંમત ખૂબ ઓછી છે. કલ્પના કરો કે જો તમે એક યુવાન, ટેકી છોકરા જેવા છો ભારતની સિલિકોન વેલીમાં બેંગ્લોર શહેર. એક દિવસ તમૅ નોટીફીકેશન મેળવો છો અને તે કહે છે કે તમારી પ્રિય અભિનેત્રી એક ટૂંકી વાર્તા લખી છે તે તમારી રાહ જુએ છે આ રીતે જ અમે જુગર્નાટ શરૂ કર્યું. અમને એક ખૂબ જ પ્રખ્યાત પૂર્વ-પુખ્ત તારો મળ્યો,જેને સન્ની લિયોની કહે છે. તે ભારતની મોસ્ટ ગુગલ્ડ વ્યક્તિ, તે થાય છે. અને અમને તેણી અમને લખવા માટે મળી ટૂંકી વાર્તાઓનો સંગ્રહ કે અમે દર અઠવાડિયે દરરોજ પ્રકાશિત કર્યું. અને તે એક સનસનાટીભર્યા હતી. મારો મતલબ, કોઈ માને નહીં કે અમે સન્ની લિયોની ને લખવાનું કહ્યું છે. પરંતુ તેણીએ કહ્યું, અને તેણે બધાને ખોટા સાબિત કર્યા, અને તેણીને આ પ્રચંડ વાચકો મળ્યા. અને જેમ હું આ વસ્તુઓ વાંચું છું આપણા ફરીથી વ્યાખ્યાયિત કર્યું છે પુસ્તક શું છે અને એક વાચક